પછી અમે જનરેટિવ એલ્ગોરિધમ્સનો ઉપયોગ કર્યો પવનની ગતિ, વરસાદનું ઝાપટું અને દિશા ને પરિવર્તત કરવા ઇથેરીલ ડેટા રંગદ્રવ્યમાં. પરિણામ એક ધ્યાન હતું છતાં સટ્ટાકીય અનુભવ. આ ગતિશીલ ડેટા શિલ્પ, શિષક "બોસ્ફોરસ," સમાન પ્રયાસ હતો અમારી કુદરતી ઘટનાઓની કલ્પના કરવાની ક્ષમતા નો. મારમાર સમુદ્રના ઉચ્ચ-આવર્તન રડાર સંગ્રહનો ઉપયોગ કરીને અમે સમુદ્ર સપાટીના ડેટા એકત્રિત કર્યા અને તેની ગતિશીલ હિલચાલની આગાહી મશીન બુદ્ધિ દ્વારા કરી. આપણે નિમજ્જનની ભાવના બનાવીએ છીએ શાંત છતાં સતત બદલાતા રહેતા કૃત્રિમ સમુદ્ર દ્ર દૃશ્યમાં. મગજ વડે જોવું જેને ઘણીવાર કલ્પના કહેવામાં આવે છે, અને મારા માટે, કાલ્પનિક આર્કિટેક્ચર કાચ, ધાતુ અથવા કોંક્રિટથી આગળ વધે છે, નિમજ્જનની શક્યતાઓ સાથેના પ્રયોગ ને બદલે અને બંધ વાતાવારણમાં આપણી દ્રષ્ટિની વૃદ્ધિ કરવાની રીતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સંશોધન દરરોજ વધી રહ્યું છે, પદ્ધતિમાં જોડાણ ની ભાવનાઓ સાથે છોડી તે મોટું અને વધુ જાણકાર છે આપણા કરતા. આ પ્રક્રિયા દરમિયાન અમારી એકમાત્ર પ્રેરણા "ધ લાઇબ્રેરી ઓફ બાબેલ" નામની વાર્તા હતી આર્જેનરીન લેખક જ્યોર્જ લુઈસ બોર્ગેઝ ની. વાર્તામાં લેખક એક વિશાળ પુસ્તકાલય સ્વરૂપમાં એક બ્રહ્માંડની કલ્પના કરે છે જે ચોક્કસ બંધારણ અને અક્ષર સમૂહની તમામ સંભવિત ચારસો દસ પૃષ્ઠના પુસ્તક ધરાવે છે. આ પ્રેરણાદાયી છબી દ્વારા, આપણે શારીરિક રીતે જ્ઞાનના વિશાળ ભંડારની શોધખોળ કરવાની રીતની કલ્પના કરીએ છીએ, મશીન બુદ્ધિ યુગમાં. પરિણામે, જેમ તમે જોઈ શકો છો, તે વપરાશકર્તા દ્વારા સંચાલિત નિમજ્જન જગ્યા હતી. "આર્કાઇવ ડ્રીમીંગ" ગહન રૂપાંતરિત પુસ્તકાલયનો અનુભવ છે મશીન બુદ્ધિ યુગમાં. "મશીન ભ્રમ" સમય અને અવકાશનું સંશોધન છે ન્યૂ યોર્ક સિટીના જાહેર ફોટોગ્રાફિક આર્કાઇવ્સના અનુભવ દ્વારા. અમે નવીન કથા પદ્ધતિને ડિઝાઇન કરી આગાહી કરવા અથવા નવી છબીઓને ભ્રમિત કરવા માટે કૃત્રિમ બુદ્ધિ વાપરવા માટે, એક સ્વપ્ન જેવા મિશ્રણ માં પગલું ભરવાની દર્શકને પરવાનગી આપે છે ભૂતકાળ અને ભવિષ્યના ન્યૂયોર્ક ની. જેમ જેમ અમારી યોજના ઊંડે ઉતરે છે જ્ઞાનને યાદ કરવામાં અને પ્રસારિત કરવામાં, અમે તેના વિશે વધુ વિચાર્યું કે કેવીરીતે યાદો સ્થિર નહોતી પણ ભૂતકાળની ઘટનાઓનો અર્થઘટન પરિવર્તનશીલ હતા. અમે વિચાર્યું કેવી રીતે મશીનો બેભાન અને અર્ધજાગ્રત ઘટનાઓનું અનુકરણ કરી શકે છે, જેમ કે સ્વપ્ન જોવું, યાદ અને ભ્રમ. આમ, અમે "મેલ્ટીંગ મેમોરીઝ" બનાવી યાદોની ક્ષણ કલ્પના કરવા માટે. પ્રેરણા એક દુ: ખદ ઘટનાથી આવી, જ્યારે મને ખબર પડી કે મારા કાકાને અલ્ઝાઇમર થયું હતું. તે સમયે, હું જે વિશે વિચારી શકતો હતો ઉજવણીનો રસ્તો શોધવાનો હતો કે કેવી રીતે અને આપણે શું યાદ કરીએ છીએ જ્યારે આપણે હજી પણ આવું કરી શકીએ. હું યાદ ન આવે તેવું વિચારવા લાગ્યો પરંતુ ગલન અથવા આકાર બદલતા તરીકે. મશીન ઇન્ટેલિજન્સની મદદથી, અમે ન્યુરોસ્કેપ લેબોરેટરીમાં વૈજ્ઞાનીક સાથે કામ કર્યું કેલિફોર્નિયા યુનિવર્સિટી ખાતે, જેમણે અમને બતાવ્યું કે કેવી રીતે મગજના સંકેતોને સમજવા માટે યાદો બનાવવામાં આવે છે. જોકે મારા જ કાકા યાદોને પ્રક્રિયા કરવાની ક્ષમતા ગુમાવતા હતા, ઇઇજી ડેટા દ્વારા પેદા થયેલ આર્ટવર્ક યાદ રાખવાની ભૌતિકતાની શોધ કરી અને મારા કાકાએ જે ગુમાવ્યું હતું તેની શ્રદ્ધાંજલિ તરીકે ઉભા રહ્યા.